નિદાન વધતું ગયું અને આ ચિંતાનો વિષય બની ગયો. ગોવિંદાને કારકિર્દીનો પહેલો મોટો બ્રેક આપ્યો હતો. ગોવિંદાએ પહેલજ નિહલાનીની ફિલ્મ 'ઇલ્ઝામ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આગળ તેમણે પહેલજ નિહલાની સાથે 'આંખેં', 'શોલા ઔર શબનમ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું. થોડા સમય પહેલા જ તેમણે 'લર્ન ફ્રોમ ધ લિજેન્ડ'ના પોડકાસ્ટમાં ગોવિંદા વિશે વાત કરતા કહ્યું હતું કે, "ફિલ્મ 'આંધી તુફાન' પછી હું મિથુન ચક્રવર્તી અને શત્રુઘ્ન સાથે એક ફિલ્મ બનાવવા માંગતો હતો, પરંતુ તે સમયે મિથુન અને શત્રુઘ્ન ચાર-ચાર શિફ્ટ કરતા હતા. આ કારણે અમારી ન બની. પછી રીક્કુ રાકેશ, ગોવિંદાને મારી પાસે લઈ આવ્યા. ફોટોગ્રાફ પણ લઈ આવ્યા, પરંતુ મને પસંદ ન આવ્યા. તેનો લુક પસંદ ન આવ્યો. બીજા દિવસે તે મારી પાસે વીડિયો કેસેટ લઈને આવ્યો, જેમાં તેના ડાન્સ હતા. તે સમયે બ્રેક ડાન્સ માઈકલ જેક્સનના કારણે લોકપ્રિય હતા. તેણે મને કેસેટ બતાવી, તો મેં પૂછ્યું કે 'શું-શું આવડે છે?' મને તેનો ચહેરો પસંદ નહોતો, પરંતુ તેનો ડાન્સ અને એક્શન પસંદ આવ્યા. મારી સ્ટોરી પૂરી એક્શન હતી, તો મેં તેની પાસેથી એક દિવસ માંગ્યો. હું લંડન જઈ રહ્યો હતો, તો હું તેને કહીને ગયો કે તું તારી તૈયારી કર." આગળ તેમણે કહ્યું, "લંડનમાં રજાઓ દરમિયાન મેં વાર્તા પૂરી કરી. પછી મેં તેમાં ડાન્સ ઉમેર્યો. આજની તારીખમાં તેના જેટલો પ્રતિભાશાળી કોઈ અભિનેતા નથી. જોકે તે સમયે તે વકીલના રોલમાં, ઇન્સ્પેક્ટરના રોલમાં ફિટ નહોતો થતો, ઊંચાઈના કારણે. પરંતુ હવે તે સ્ટાર બની ગયો છે, સ્ટાર પાસેથી તો કંઈ પણ કરાવી લો. તે જ પોડકાસ્ટમાં પહેલજ નિહલાનીએ આગળ કહ્યું, "ગોવિંદા પાસે કામ નહોતું, ત્યારે 'શોલા ઔર શબનમ' અમે શરૂ કરી, તો તેની પાસેથી પહેલીવાર કોમેડી રોલ કરાવ્યો. પછી જ્યારે કામ નહોતું, ત્યારબાદ ત્યારે ફિલ્મ 'આંખે' કરાવી. બંને ફિલ્મોમાં એકદમ અલગ રોલ હતો." પહેલજ નિહલાનીએ કહ્યું હતું, "ગોવિંદા ઇનસિક્યોર છે." જ્યારે પહેલજ નિહલાનીને પૂછવામાં આવ્યું કે, 'શું ગોવિંદાના નકારાત્મક વલણને કારણે ઘણા નિર્માતાઓ અને દિગ્દર્શકો તેમની સાથે કામ કરવા માંગતા ન હતા?' ત્યારે તેના જવાબમાં તેમણે કહ્યું, "જ્યારે સફળતા મળે છે, ત્યારે માણસ દરેક પીડા સહન કરી લે છે, પરંતુ જ્યારે સફળતાની સીડી પરથી નીચે ઉતરે છે ત્યારે તકલીફ થાય છે. ગોવિંદામાં તે સમસ્યા શરૂઆતથી જ હતી. કારણ કે તે પોતાને અસુરક્ષિત માનતો હતો. તેના પિતા મહેબૂબ ખાનના ખૂબ મોટા હીરો રહ્યા છે. મોટી-મોટી ફિલ્મો કરી, સારા નિર્માતા પણ રહ્યા, નુકસાન થયું.